એક અંદાજ પ્રમાણે ખાદીની કામગીરી સાથે સંકળાયેલી એક સો પાંસઠ જેટલી સંસ્થાઓ દ્વારા ગાંધી જયંતિ નિમિત્તે એક સો છત્રીસ કરોડ રૂપિયાનું વેચાણ થવાનો અંદાજ છે. જેના પરિણામે ઓગણિસ હજાર જેટલા ખાદી વણાટના કારીગરોને ફાયદો મળશે. ગરીબ અને વંચિત વર્ગની રજૂઆત વહેલી તકે ઉકેલ પામે તે જોવા પણ અધિકારીઓને તેમણે કહ્યું હતું. વિષ્ણુભાઈ પટેલની યાદી જણાવે છે કે, દેશની અખંડિતતા ઉપર ત્રણસો સિત્તેરની કલમ હટાવીને સમગ્ર દેશવાસીઓમાં એક અનેરો વિશ્વાસ અને રાષ્ટ્રવાદ પેદા કરીને સમગ્ર ભારતવાસીઓના દિલ જીતી લીધા છે. આકાશ ચોમેર કાળા ડિબાંગ વાદળોથી છવાયું છે અને ભારે વરસાદ પડી રહ્યો છે. રાષ્ટ્રીય માનવ અધિકાર પંચના શ્રીમતી જયોતિકા કાબરા આ સ્પર્ધાના નિર્ણાયક તરીકે સેવા આપશે. તેઓ સુરત વિમાન મથકે આવી પહોંચશે. કચેરી ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે. વાહન વ્યવહાર મંત્રી શ્રી આર શ્રી રાદડીયાએ જણાવ્યું હતું કે, આ વર્ષે સારા વરસાદને કારણે રાજ્યમાં મગફળીનું વિક્રમ રૂપ ઉત્પાદન થવાનો અંદાજ છે. તો અમારા પાટણના પ્રતિનિધી જણાવે છે કે, પાટણમાં સિઝનમાં પહેલીવાર ગાજવીજ સાથે મુશળધાર વરસાદ શરૂ થયો છે. રાજ્યમાં આગામી શનિ-રવિ સહિત તમામ જાહેર રજાના દિવસોએ તમામ આર, આસો, સુદ, આઠમ રવિવારે છ ઓક્ટોબરે આરતી સવારે નવ કલાકે રાખવામાં આવી છે. ભાજપ દ્વારા રાષ્ટ્રીય એકતા અભિયાન 'એક દેશ એક સંવિધાન' અંતર્ગત ભાજપા મહિલા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષા શ્રીમતી વિજ્યા રાહટકરજી આવતીકાલે સુરતના પ્રવાસે આવી રહ્યા છે. ચાલુ ખરીફ સીઝન માટેના આ ખરીદી માટે પહેલી ઓકટોબરથી ઓનલાઇન નોંધણી પ્રક્રિયા શરૂ થશે. પહેલી ઓક્ટોબરથી ઓનલાઇન નોંધણી થશે. તેમણે જણાવ્યું હતું કે ભારતનું સૌથી મહત્વનું આગામી મિશન ગગન યાન છે. જેમાં અવકાશમાં અમાનવ યાન મોકલવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે, પૂરવઠા ઉપર નજર રાખવા તમામ કેન્દ્રો ઉપર સી.સી.ટી.વી. કેમેરા ગોઠવવામાં આવશે. કચેરીઓ રાબેતા મુજબ ચાલુ રહેશે. રાજ્યમાં પચ્ચીસ લાખ ટન મગફળીના પાકના અંદાજ સામે સરકાર આઠ લાખ ટન મગફળીની ટેકાના ભાવે ખરીદી કરશે. નવરાત્રી નિમિત્તે ઘટ સ્થાપન આસો સુધ પડવાને ઓગણત્રીસ સપ્ટેમ્બરે સવારે નવ વાગે થશે. દ્વારકા પંથકમાં સાર્વત્રિક વરસાદી માહોલ છવાયો છે. તેવા પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું હતું કે અમે વિગતવાર યોજના તૈયાર કરી રહ્યા છીએ. તે ધ્રાંગધ્રા છાવણીમાં રખાયેલા શસ્ત્ર તથા અન્ય સરંજામની સમજણ પણ બાળકોને આપવામાં આવી હતી. ધ્રાંગધ્રા છાવણીમાં બાળકો ઝાલાવાડમાં ધ્રાંગધ્રા ખાતે આવેલી લશ્કરી છાવણીની મુલાકાતે શહેરની અનેક શાળાના બાળકો પહોંચ્યા હતા, અને સૈનિકની જિંદગી કેવી હોય તેનાથી વાકેફ થયા હતા. ગુજરાત વડી અદાલતના ન્યાયમૂર્તિ જસ્ટીસ એન રાજ્ય સરકારે કેન્દ્રના ભાવે મગફળીની ખરીદી કરવાની જાહેરાત કરી. રાજ્ય સરકારે આ શનિ રવિ આર સિવાને જણાવ્યું છે કે, ચંદ્રયાન-ટુ ના વિક્રમ લેન્ડરના હાર્ડ લેન્ડીંગ પછી ઇસરો ભવિષ્યના ચંદ્ર મિશન ઉપર કાર્ય કરી રહ્યું છે. સૂત્રાપાડા તાલુકાના પ્રાચી સહિત અનેક ગામોમાં વરસાદ વરસી રહ્યો છે. અંજારીયા રાષ્ટ્રીય માનવ અધિકાર પંચના સેક્રેટરી જનરલ શ્રી જયદિપ ગોવિંદની ઉપસ્થિતિમાં આ વાદવિવાદ અદાલત સ્પર્ધાને ખુલ્લી મુકનાર છે.